એક્સક્લૂસિવ: સિંગાપોર, દુબઇ, ચીન સુધી ફ્લાઇટ ઉડાડતી કચ્છની પહેલી મહિલા પાયલટ. ઇન્ડિગોએ એર બસની કમાન સોંપી, કોસ્ટ ગાર્ડના ઓફિસરને આંખમાં આંખ મિલાવી કહ્યું- "હું પૈસા કમાવા નથી આવી. કચ્છનું કાળી તલાવડી ગામ. એક એવો અંતરિયાળ વિસ્તાર જ્યાં આહીર સમાજમાં દીકરીઓનું શિક્ષણ ખૂબ જ મર્યાદિત હતું. આવા રૂઢિચુસ્ત વાતાવરણમાંથી આવતી એક દીકરી એટલે પૂજા આહીર. જેણે તમામ સામાજિક બંધનો અને પડકારોનો સામનો કર્યો ને પોતાનો માર્ગ જાતે બનાવ્યુ. જન્મ સમયે દાદાએ કહ્યું,"આપણા ઘરમાં બેનઝીર ભુટ્ટો આવી છે." પૂજાનો જન્મ કચ્છના એક એવા માહોલમાં થયો હતો જ્યાં દીકરીના જ જન્મને બહુ ઉત્સાહથી વધાવવામાં આવતો નહોતો. પૂજાના પિતા રમેશભાઇ કાનજીભાઇ આહીર ક્રેઇન અને હાઇડ્રોલિક મશીનનો બિઝનેસ કરતા હતા. જ્યારે પૂજાનો જન્મ થયો, બરાબર તે જ દિવસે પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટો પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા. પૂજાના દાદા ભલે બહુ ભણેલા નહોતા, પણ ટ્રાન્સપોર્ટના બિઝનેસને કારણે વૈશ્વિક પ્રવાહોથી વાકેફ હતા. તેમણે દીકરીના જન્મ સમયે જ ગર્વથી કહ્યું કે,"આપણા ઘરમાં બેનઝીર ભુટ્ટો આવી છે," અને તેમણે પૂજાનું ઉપનામ જ બેનઝીર પાડી દીધું. એક નાનકડા ગામડામાંથી નીકળીને આંતરરાષ્ટ્રીય સરહદ પર મિલિટરી એરક્રાફ્ટ ઉડાડવા અને દેશની પ્રથમ મહિલા કોસ્ટ ગાર્ડ પાયલોટ બનવા સુધીની અદભૂત સફર વિશે જાણવા દિવ્ય ભાસ્કરે પૂજા, તેમના માતા સરસ્વતીબેન, પિતા રમેશભાઈ આહીર, અને મોટી બહેન નિરાલી સાથે વાત કરી હતી. "હું નાની હતી ત્યારે ફ્લાઇંગ સ્કૂલ સર્ચ કરતી હતી". પૂજા કહે છે કે, "હું જ્યારે સાવ નાની હતી, અને ધોરણ ત્રીજા-ચૌથામાં ભણતી હતી ત્યારથી જ હું એક જ રટણ કરતી હતી કે "મમ્મી, મારે મોટી થઇને પાયલોટ જ બનવું છે." એ જમાનામાં સ્માર્ટફોન કે ઇન્ટરનેટનો આટલો પ્રભાવ નહોતો પણ હું ન્યૂઝપેપરમાં આવતા એવિએશનના સમાચાર કાપીને બૂકમાં સાચવી રાખતી. હું ધોરણ ત્રણ માં હતી, ત્યારે અમારી ઓફિસમાં બિઝનેસન કામ માટે રાખેલું કોમ્પ્યુટર જાતે જ ઓપરેટ કરવા બેસી જતી. જ્યારે મમ્મી મોડી રાત્રે જાગવા બદલ ટોકતી, ત્યારે હું કહેતી કે ઇન્ડિયામાં ભલે રાત હોય, અમેરિકામાં તો અત્યારે દિવસ છે ને. હું મારા માટે અમેરિકાની ફ્લાઇંગ સ્કૂલ સર્ચ કરી રહી છું. હું ત્યાં જઇને જ પાયલોટ બનીશ. પપ્પાએ શરત મુકી કે અમેરિકા જવાની પ્રોસેસ જાતે જ કરવાની. શરૂઆતમાં પૂજાએ અમદાવાદમાં ફ્લાઇંગ ટ્રેનિંગ શરૂ કરી પણ તેને મજા નહોતી આવતી. તેણે પપ્પાને સાફ કહી દીધું કે, "પપ્પા, અહીં મારું અસલી સપનું પૂરું નહીં થાય. પાયલોટ ટ્રેનિંગ માટે ઇન્ડિયા કરતાં અમેરિકા ઘણું સારું છે, મારે ત્યાં જવું છે." આના પછી તેના પપ્પાએ શરત મૂકી કે, "હું ફાઇનાન્સિયલી સપોર્ટ કરીશ પણ અમેરિકા જવાની બધી પ્રોસેસ તારે જાતે